કપડાના અંતે શૂ કમ્પાર્ટમેન્ટ. તમારા કપડામાં લાઇટ ઉમેરવાનું વિચારો. જો તમે લાવણ્ય અને શૈલી ઉમેરવા માંગો માંગતા હો, તો તમારા કપડામાં એલઇડી સ્ટ્રીપ લાઇટ ઉમેરવાનું વિચારો. લાઇટ્સ ઘણા રંગોમાં ઉપલબ્ધ છે, સસ્તી છે અને તમારા કબાટના એકંદર સૌંદર્યને ઉન્નત કરી શકે છે. તમારી દિવાલોના રંગછટા અને તમારા કબાટની ડિઝાઇનના આધારે, તમે સ્પાર્કલિંગ વાદળી અથવા નરમ સફેદ પસંદ કરી શકો છો.એલ એલઇડી સ્ટ્રીપ્સ દર્શાવતી પ્રકાશિત કપડાની ડિઝાઇન ડિઝાઇન. રતન સાથે દ્રવ્ય નિવેદન બનાવો. તમારા કપડાની ડિઝાઇનમાં ઓર્ગેનિક ટચ ઉમેરવા માટે રતન શ્રેષ્ઠ વિકલ્પોમાં રતનનો કુદરતી રંગ તેને કોઈપણ સર જામ થીમ માટે સંપૂર્ણ મેચ બનાવે છે. વધુમાં, રતન તેની કુદરતી ટકાઉપણું માટે જાણીતું છે અને તેની ચમક અને દેખાવ ગુમાવ્યા વિના દૈનિક ઉપયોગનો સામનો કરી શકે છે. ઉત્તમ દેખાવ માટે રતન કપડા ડિઝાઇન. કપડા ડિઝાઇન માટે ટિપ્સ. જ્યારે તમે આદર્શ કપડા ડિઝાઇનની શોધ કરો ત્યારે ધ્યાનમાં રાખવા માટે અહીં કેટલાક વિચારો છે. સંગ્રહ. તમારા કપડાંના સંગ્રહ માટે તમારે કયા પ્રકારના સંગ્રહની જરૂર છે તે નક્કી કરો. જો તમારી પાસે ઘણાં બધાં કપડાં અને ઔપચારિક કપડાં છે, તો સંપુ ખાતરી કરો કે તમારા કપડામાં લટકાવવાની પૂરતી જગ્યા છે. જો તમારા કપડા વિવિધ એક્સેસરીઝથી ભરેલા હોય, તો ડ્રોઅર રાખવા શ્રેષ્ઠ વિકલ્પ છે. શૈલી. બજારમાં ઉપલબ્ધ ઘણા વિકલ્પો સાથે કપડાની શૈલી પસંદ કરવી પડકારરૂપ હોઈ શકે છે. કપડાદાની ખરીદી કરતી વખતે તમારા બેડરૂમની એકંદર ડિઝાઇન તેમજ અન્ય ફર્નિચરને ધ્યાનમાં રાખો. કપડાદાની ડિઝાઇન રૂમના એકંદર સૌંદર્યશાયન પૂકાર હોવી જોઈએ. સુમેળભર્યા દેખાવની ખાતરી કરવા માટે કપડાનો રંગ પણ બેડરૂમની દિવાલના રંગ સાથે મેળ ખાતો હોવો જોઈએ. દરવાજાનો પ્રકાર. ઉપલબ્ધ જગ્યા અને વ્યક્તિગત પસંદગીઓના આધારે, સ્વિંગિંગ અને સ્લાઇડિંગ દરવાજા વચ્ચે પસંદગી કરો. સ્વિંગ ડોર વોર્ડરોબ દરવાજા ખોલવા માટે અને વ્યક્તિ પાછળ જવા માટે પૂરતી જગ્યા ધરાવતી જગ્યામાં અસરકારક રીતે કામ કરે છે. બીજી તરફ, સ્મેધ ડ્યુઅલ ટ્રેક સાથે સ્લાઇડિંગ ડોર રૂમના વિઝ્યુઅલ દેખાવમાં વધારો કરે છે. સામગ્રી. વોર્ડરોબ મોટાભાગે ઇન-બિલ્ટ હોવાથી અને લાંબા ગાળાના ફિક્સર હોવાથી, ઉચ્છાવ ગુણવત્તાની સમગ્રીથી બનાવેલ કપડાને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. જો કે લાકડું ખૂબ પસંદ કરવામાં આવે છે, એક્રેલિક અને લેમિનેટ સહિત અન્ય સામગ્રીઓ પણ એક ઊરી ઉત્તમ પસંદગી છે. ખાતરી કરો કે તમે તમારા કપડા માટે જે સામગ્રી પસંદ કરો છો તે જગ્યાની ડિઝાઇન સાથે સરસ રીતે ભળી જાય છે. કપડા ડિઝાઇન પર સારાંશ. અમે વારંવાર અમારા કપડાને સાંસારિક જૂના સ્ટોરેજ કેબિનેટ તરીકે ગણીએ છીએ અને તેનો કોઈ વિચાર કરતા નથી. પરંતુ અમે અમારા કબાટને એક એવો વિસ્તાર બનાવવા માટે ઘણું બધું કરી શકીએ છીએ.